ખાતરી કરો કે તમારું વાસ્તુ ગણેશનું ચિત્ર અથવા મૂર્તિ વિગતો ધરાવે છે. ઉંદર અને મોદક સાથે ગણેશજી. ગણેશ મૂર્તિ પ્લેસમેન્ટનું વાસ્તુ મહત્વ. ઘરમાં ગણેશની મૂર્તિ ક્યાં રાખવાનું ટાળવું તે જાણવું જોઈએ. સીડી, ગેરેજ, શયનખંડ અને બાથરૂમની નીચે મૂર્તિ મૂકવી અશુભ છે. ઘરમાં ગણેશજીનું ચિત્ર. ગણેશની મૂર્તિ માટે વિવિધ સામગ્રીનું વાસ્તુ મહત્વ. જો તમે ઘરમાં ગણેશ મૂર્તિ રાખવા ઈચ્છતા હોવ તો તે કઈ સામગ્રીમાંથી બને છે તે પણ ધ્યાનમાં લેવું જરૂરી છે. વિવિધ સામગ્રી વિવિધ બાબતોનું પ્રતિનિધિત્વ કરે છે. પિત્તળ. સમૃદ્ધિ, વિપુલતા, આનંદ અને ખુશી પિત્તળની ગણેશની મૂર્તિ સાથે ઘરમાં આવશે. ક્રિસ્ટલ. ઘરમાં વાસ્તુ દોષ હોવો ખરેખર અશુભ હોઈ શકે છે. સ્ફટિક ગણેશની મૂર્તિની મદદથી તમારા વાસ્તુ દોષને દૂર કરો. તાંબુ. પરિવાર શરૂ કરવા માંગતા યુગલો માટે ગણેશ વાસ્તુ અનુસાર ઘરમાં તાંબાની ગણેશની મૂર્તિ રાખવાની સલાહ આપવામાં આવે છે. ચાંદી. જો તમે તમારા જીવનમાં પ્રસિદ્ધિ મેળવવા ઈચ્છતા હોવ તો ઘરમાં ચાંદીની ગણેશની મૂર્તિ રાખો. લાકડું. આરોગ્ય એ સંપત્તિ છે, અને લાકડાની ગણેશની મૂર્તિ ઘરમાં રાખવાથી સારું સ્વાસ્થ્ય આકર્ષિત થશે અને પરિવારના સભ્યોને લાંબું, પરિપૂર્ણ જીવન આપવામાં મદદ મળશે. ઘરમાં ગણેશજીના મહત્વનો સારાંશ. ઘરમાં ભગવાન ગણેશની પ્રતિમા રાખવી ખૂબ શુભ માનવામાં આવે છે. ગણેશ વાસ્તુ મુજબ, ભગવાન ગણેશ ઘરમાં શાંતિ અને સુખ લાવે છે અને તમારા ઘરને નકારાત્મક શક્તિઓથી પણ બચાવે છે. પરંતુ આ બધું ત્યારે જ શક્ય છે, જ્યારે આપણે ગણેશ વાસ્તુના નિયમોનું પાલન કરીએ, પછી ભલે તે સ્થાન, મૂર્તિની મુદ્રાઓ કે રંગની વાત હોય. ઉપરના બ્લોગમાં, અમે તમારી સાથે ગણેશ વાસ્તુ વિશેની બધી વાતો શેર કરી છે. તમને આમાંથી કઈ ટીપ્સની જરૂર હતી? અથવા શું તમને લાગે છે કે અમે કોઈ મહત્વપૂર્ણ ટીપ્સ ચૂકી ગયા છીએ? અમને નીચે ટિપ્પણી વિભાગમાં જણાવો. વાસ્તુ વિશે વધુ. હોર્સ પેઇન્ટિંગના વાસ્તુ લાભો અને પ્લેસમેન્ટ. વાસ્તુ યંત્ર શું છે અને તેને ક્યાં રાખવું જોઈએ? વાસ્તુ પિરામિડ અને તેની પાછળનું રહસ્ય. વક્ર દર્પણ વાસ્તુ. અંતર્મુખ અને બહિર્મુખ અરીસો. ઘર માટે વાસ્તુ ફુવારો. પ્રકારો અને મહત્વ. ઊંટ પેઇન્ટિંગ વાસ્તુ દિશાઓ, પ્રકારો અને લાભો. ઘર માટે વાસ્તુ વૉલપેપર. વાસ્તુ પ્રમાણે કાચબાને ઘરમાં મૂકવો. હાથીની છબીઓ માટે વાસ્તુ લાભ અને સ્થાન. વાસ્તુ હોકાયંત્રના પ્રકારો અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો. વાસ્તુ પુરુષ મંડળ શું છે અને તેને ક્યાં મૂકવું? પૂજા રૂમ માટે વાસ્તુ ટિપ્સ અને સજાવટના વિચારો. ભારતીયો માટે આધુનિક કપડાંની ડિઝાઇન ટિપ્સ. અમારા રૂમની સુંદરતા માત્ર ડેકોરેશન અને વોલ કલર નથી. તમારા સ્થાનના સંપૂર્ણ દેખાવને પૂરક બનાવવામાં કપડાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આધુનિક કપડાની ડિઝાઇન તમારા સ્થાનને વધુ સૌંદર્યલક્ષી દેખાવ આપે છે.